આ કાર આવતા મહિને જૂનમાં લોન્ચ થશે. એક્ટિવ સિલિન્ડર ટેક્નોલોજી આ કારમાં વન પોઇન્ટ ફાઈવ-લિટર એન્જિન સાથે જોવા મળશે. તેમાં વન પોઇન્ટ ઝીરો-લિટર એન્જિનનો વિકલ્પ પણ મળશે. સિટ્રોએન થ્રી એ ફાઈવ એરક્રોસ પછી ભારતમાં લોન્ચ થનારી ફ્રેન્ચ કાર નિર્માતાનું બીજું મોડલ બનવા જઈ રહ્યું છે. તે આવતા મહિને લોન્ચ થવાની ધારણા છે. સત્તાવાર લોન્ચિંગ પણ જૂનમાં થાય તેવી શક્યતા છે. આ નાની ટાટા પંચને ટક્કર આપશે. થવાની ધારણા છે બજેટ મિડ સાઈઝની એસયુવી હશે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો મહિન્દ્રા આવતા મહિને તેની લોકપ્રિય સ્કોર્પિયો એસયુવીનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. મહિન્દ્રા સ્કોર્પિયોને તેના હાલના ટુ પોઇન્ટ ઝીરો-લિટર ચાર-સિલિન્ડર પેટ્રોલ અને ટુ પોઇન્ટ ટુ-લિટર ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે પાવર કરે તેવી શક્યતા છે. આ જ એન્જિનનો ઉપયોગ થાર અને સેવન હંડ્રેડમાં પણ કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી વિટારા બ્રેઝામારુતિ આવતા મહિને ભારતીય બજારમાં લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝાનું અપડેટેડ મોડલ લોન્ચ કરી શકે છે. જોકે મારુતિએ કોઈ તારીખની પુષ્ટિ કરી નથી. આ મહિનાના અંતમાં થવાની સંભાવના છે. મારુતિ વધુ સ્ટાઇલિશ દેખાવા માટે ની ડિઝાઇનને અપગ્રેડ કરે તેવી શક્યતા છે. હ્યુન્ડાઇ સ્થળ અપડેટેડ બ્રેઝા પછી તરત જ સ્થળનું અપડેટેડ મોડલ પણ લોન્ચ કરી શકે છે. વેન્યુ સબ-કોમ્પેક્ટ એસયુવી તેની કેટેગરીમાં સૌથી વધુ વેચાતા મોડલ પૈકીનું એક છે., જે વૈશ્વિક બજારો માટે પહેલેથી જ વિકસાવવામાં આવી છે, તે આવતા મહિનાના અંતમાં લોન્ચ થવાની સંભાવના છે. જો તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ વસ્તુઓને કારમાં રાખવાનું ભૂલશો નહીં, ઈમરજન્સીમાં તે ખૂબ જ ઉપયોગી થશે. પર નહીં કરી શકાય કોલ રેકોર્ડિંગ, ઇલેવન મેથી બંધ થશે આ સુવિધા પર બ્લુ ટિક કેવી રીતે દૂર કરવી? જીબી વોટ્સએપ - સટકા મટકા ટાઇમ બજાર ઓપન શું છે અને તેનો ઇતિહાસ ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા. પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. દરરોજ લેટેસ્ટ અપડેટ તમારા પર મેળવવા આજે જ જોઈન કરો અમારું ગ્રુપ. કાળઝાળ ગરમીમાં આ રીતે તમારી કારની સંભાળ રાખો, ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય ઉનાળામાં કારની સંભાળ: ભારતના ઘણા ભાગો ગરમીની લપેટમાં છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. પ્રખર સૂર્યનો સામનો કરવો એ માત્ર આપણા માટે જ નહીં પરંતુ આપણા વાહનો માટે પણ એક પડકાર છે. આવી સ્થિતિમાં કાર પાર્ક કરીને તડકામાં મુસાફરી કરવાથી તમારી કાર પર નકારાત્મક અસર પડી શકે છે. લાંબા સમય સુધી ઊંચા તાપમાનના સંપર્કમાં રહેવાથી તમારી કારને નુકસાન થઈ શકે છે. જો તમે પણ ઘણીવાર તડકામાં મુસાફરી કરો છો અથવા તડકામાં કાર પાર્ક કરો છો, તો તમારે તમારી કારની વધુ કાળજી લેવી જોઈએ. કારણ કે ગરમીના કારણે તમારી કારમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.